"તમને એક વાત નથી કીધી મે રૉબર્ટ, પીટર સાથે થયેલા મારા એક્સિડન્ટ પછી મને એક વિચિત્ર બીમારી થઈ છે. જેના લીધે હું ખુદને પણ સમજી નથી શકતી." જેની એક વિશ્વાસમાં બોલી ગઈ. "મને ખબર છે જેની, તને ટ્રોમા ઈન્ડ્યુસ્ડ એન્ટિગ્રેડ મેમરી લૉસ છે." રૉબર્ટે ફોડ પાડ્યો. "પણ તને કઈ રીતે ખબર એ રૉબર્ટ?" જેનીએ આતુરતાથી પૂછયું. રોબર્ટની આંખમાં પાણી ભરાયું, તે બોલ્યો, "હું તને જે મેમરી યાદ નથી રહેતી, તેનો બહુ જ મોટો ભાગ છું." રૉબર્ટ બોલ્યો. કાર ઘર તરફ આગળ વધી રહી હતી, ઘર સુધી પહોંચીને કાર ઊભી રહી. જેનીનો ગૃહ પ્રવેશ ફરીથી થયો. ઘરમાં રોબર્ટ અને જેનીની ઘણી બધી તસવીર લગાવેલી હતી, અને સામે એક પચ્ચીસ વર્ષનો છોકરો ઊભો હતો, જે આ વસ્તુને બરાબર સમજી ગયો હતો. "જેની, તુ બેસ, અમે તને બધું સમજાવીએ." રૉબર્ટ બોલ્યો. "પ્લીઝ, જલ્દી. રૉબર્ટ તારી સાથેની મારી આ તસવીરો? આ બધું મારી સમજની બહાર છે, મારું માથું ફાટી રહ્યું છે, જલ્દી બોલો કે તમે બંને કોણ છો?" એક જ શ્વાસમાં જેની બોલી ગઈ. "તારા અને પીટરના થયેલા અકસ્માત પછી તને એડમીટ કરવામાં આવેલી. પીટર તો દુનિયા છોડીને એજ સેકન્ડે જતો રહ્યો હતો. પણ,તારા નસીબમાં કંઈક અલગ હતું. તારી લાઈફ તો બચી ગઈ, પણ નવી મેમરી બનાવવાની અને તેને યાદ રાખવાની ક્ષમતામાં ઘણું નુકશાન થયું. તને પીટર જોડે થયેલા એકસીડન્ટ પહેલાની બધી જ વસ્તુઓ પરફેક્ટ યાદ છે, હું જ્યારે મારી સારવાર કરવા માટે રિહેબિલિટેશન સેન્ટરમાં આવ્યો, ત્યારે તેજ મને ફરીથી સાજો કર્યો હતો. તારી જોડે રહીને મને તારા જોડે ક્યારે પ્રેમ થઇ ગયો તે મને ખ્યાલ જ ના રહ્યો. જ્યારે મને તારી બીમારી વિશે રિહેબિલિટેશન સેન્ટરમાં જણાવવામાં આવ્યું ત્યારે મને ઘણો આઘાત લાગ્યો. પણ તને એકલા મૂકીને જવાનો મારો જીવ ન ચાલ્યો. તને પણ હું ગમવા લાગ્યો હતો, એટલે જ મારા મેરેજનું પ્રપોઝલ તે એક્સેપ્ટ કર્યું. અને તારા દિકરા 'સેમ' ને મેં મારા સગા દીકરા જેટલો જ પ્રેમ આપ્યો છે. આ છોકરો તારી સામે જે ઊભો છે એ તારો સેમ જ છે. છેલ્લા ત્રીસ વર્ષથી દર પંદર દિવસે તુ બધુ ભૂલીને એક્સિડન્ટ પહેલાની તારી યાદોમાં પહોંચી જાય છે, અને હું તને શોધીને પાછી લાવુ છું, અને એક્સિડન્ટ પછીની લાઈફ તને જીવાડું છું. હજી આ સ્ટોરી મારે તને ફરીથી કેટલી વાર કહેવી પડશે એ હું નથી જાણતો. પણ તું ચિંતા ના કરીશ, હું હંમેશા તને આ વાર્તા સંભળાવતો રહીશ, મારા છેલ્લા શ્વાસ સુધી." આટલું બોલી તે